શું પશ્ચિમે બધુ ગુમાવ્યું છે? અને મારો જવાબ એ છે કે મોડું થયું નથી. વેસ્ટ પુનઃ પ્રાપ્ત કરવા માટે શક્ય છે અને તાકાતમાં પાછા આવો. અને પશ્ચિમી કલાની તર્કનો ઉપયોગ કરીને હું ભલામણ કરીશ કે પશ્ચિમ નવી "થ્રી-એમ" વ્યૂહરચના અપનાવો. તેમ છતાં પશ્ચિમી પ્રભુત્વ સમાપ્ત થયું છે. પશ્ચિમી દેશો દખલ કરવાનું ચાલુ રાખે છે અને બાબતોમાં દખલ કરો અન્ય ઘણા સમાજો. આ બુદ્ધિહીન છે. આ ગુસ્સો અને રોષ પેદા કરે છે ખાસ કરીને ઇસ્લામિક સમાજમાં. તે સંસાધનોને પણ ડ્રેઇન કરે છે અને પશ્ચિમી સમાજોની આત્માઓ. હવે હું જાણું છું કે ઇસ્લામિક વિશ્વ આધુનિકીકરણ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. તેને તેનો રસ્તો શોધવો પડશે પરંતુ તેવું શક્યતા છે જો તે કરવા માટે એકલા બાકી છે. હવે હું આને થોડીક ખાતરી સાથે કહી શકું છું કારણ કે હું એક પ્રદેશનો છું દક્ષિણપૂર્વ એશિયા જેમાં લગભગ ઘણા મુસ્લિમો છે આરબ વિશ્વ તરીકે. અને એક સમયે એશિયાના "બાલ્કન્સ" તરીકે ઓળખાતા આજે દક્ષિણપૂર્વ એશિયા સંસ્કૃતિનો ક્લેશ અનુભવી રહ્યા છો. તેના બદલે તમે દક્ષિણપૂર્વ એશિયામાં જે જુઓ છો એક સૌથી શાંતિપૂર્ણ છે અને પૃથ્વીના સમૃદ્ધ ખૂણા બીજા સૌથી સફળ સાથે પ્રાદેશિક બહુપક્ષીય સંસ્થા, આસિયાન તેથી સ્પષ્ટ રીતે, ઓછામાં ઓછા કામ કરી શકે છે. પશ્ચિમે તેનો પ્રયાસ કરવો જોઈએ. પણ હું જાણું છું કે મિનિમલિઝમ બધી સમસ્યાઓ હલ કરી શકતા નથી. કેટલીક મુશ્કેલ સમસ્યાઓ છે જેની સાથે કાર્યવાહી કરવી પડશે, અલ કાયદા, આઈએસઆઈએસ તેઓ ખતરનાક જોખમો રહે છે. તેઓ મળવા જ જોઈએ. તેઓનો નાશ કરવો જ જોઇએ. સવાલ એ છે કે, "શું તે પશ્ચિમ માટે બુદ્ધિશાળી છે જે ટ્વેલ્વ ટકા રજૂ કરે છે વિશ્વની વસ્તી?" હા, ટ્વેલ્વ ટકા આ ધમકીઓ તેના પોતાના પર લડવા અથવા બાકીની સાથે લડવા માટે વિશ્વની એઈટી એઈટ ટકા વસ્તી? અને તાર્કિક અને તર્કસંગત જવાબ છે કે તમારે કામ કરવું જોઈએ બાકીના એઈટી એઈટ ટકા સાથે. હવે ક્યાં જાય છે જો તમે મેળવવા માંગો છો માનવતાનો ટેકો? ત્યાં ફક્ત એક જ સ્થાન છે, "યુનાઇટેડ નેશન્સ". હવે, હું યુએનમાં બે વખત રાજદૂત રહી ચૂક્યો છું. કદાચ તે મને થોડો પક્ષપાતી બનાવે પરંતુ હું તમને કહી શકું છું કે કામ કરવું યુએન સાથે સફળતા તરફ દોરી શકે છે.